હું ખૂબ નસીબદાર છું. હું એક સુંદર શાળામાં કામ કરું છું મહાન નેતૃત્વ સાથે. હું મોટા જિલ્લાની સેવા કરું છું. ઘણા સ્વસ્થ ભાગીદારી સાથે સમુદાય એજન્સીઓ સાથે તેઓએ સતત પ્રદાન કર્યું છે. વધતી સંખ્યા શાળા સલાહકારો અને ચિકિત્સકો અને અમારા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સ્ટાફને સપોર્ટ કરો. તેઓ સ્ટાફના સભ્યોને પણ પ્રદાન કરે છે મફત પરામર્શની સાથે અમારી રોજગાર યોજનાના ભાગ રૂપે, પરંતુ ઘણા નાના જિલ્લાઓ અને કેટલાક મોટા લોકો પણ ફક્ત સહાય વિના બિલને પગ નહીં લગાવી શકે. ઘણી શાળાઓ જે કરી શકે તે કરી રહી છે જગ્યાઓ ભરવા માટે, સ્વીકૃતિ સાથે પ્રારંભ કે આપણે જે કામ કરીએ છીએ એકદમ સખત છે. લિંકનની બીજી શાળા મિડલ સ્કૂલ, જેને તેઓ કહે છે "વેલનેસ બુધવાર. " તેઓ સમુદાયના યોગ શિક્ષકોને આમંત્રણ આપે છે, તેઓ આસપાસ ચાલો પ્રાયોજક બપોરના ભોજન દરમિયાન પડોશી અને સામાજિક કાર્યક્રમોનું આયોજન તે બધા હેતુવાળા છે લોકોને સાથે લાવવા માટે. ઝાચેરી એલિમેન્ટરી સ્કૂલ ઝેચરી, લ્યુઇસિયાનામાં, કંઈક છે જેમને તેઓ બોલાવે છે એક "મિડવીક મીટઅપ," જ્યાં તેઓ શિક્ષકોને લંચ શેર કરવા આમંત્રણ આપે છે અને વસ્તુઓ વિશે વાત કરવા માટે કે સારી રીતે ચાલે છે અને વજનવાળી વસ્તુઓ તેમના હૃદય પર ભારે આ શાળાઓ જગ્યા બનાવી રહી છે વાતચીત માટે તે મહત્વનું છે. છેવટે, મારા મિત્ર અને સાથી જેન હાઇસ્ટ્રીટ દરેક દિવસમાંથી પાંચ મિનિટ લે છે, એક પ્રોત્સાહક લખવા માટે એક સાથીદારને નોંધો, તેમને જણાવવા કે તેણીની મહેનત જુએ છે અને હૃદય કે જે તેઓ અન્ય લોકો સાથે શેર કરે છે. તે જાણે છે કે તે પાંચ મિનિટ એક અમૂલ્ય હોઈ શકે છે અને શક્તિશાળી લહેર અસર અમારી શાળામાં. મારા વર્ગખંડમાં લટકતી સાંકળ માત્ર એક શણગાર કરતાં વધુ છે. તે લિંક્સ આપણા માથા ઉપર લટકતી હોય છે આખા ચાર વર્ષ માટે કે અમારા વિદ્યાર્થીઓ અમારા હોલ ચાલે છે, પણ નિર્દેશ કરી શકે છે જ્યાં તેમની લિંક અટકી છે. તેમને યાદ છે કે તેઓએ તેના પર શું લખ્યું છે. તેઓ કનેક્ટેડ અને સપોર્ટેડ લાગે છે અને તેમને આશા છે. શું એ આપણને બધાની જરૂર નથી? કોઈક પહોંચવા માટે અને ખાતરી કરો કે અમે ઠીક છીએ. અમારી સાથે તપાસ કરવા માટે અને અમને યાદ અપાવો કે અમે એક કડી છીએ. દરેક હવે પછી, આપણે બધાને થોડી મદદની જરૂર છે આ હોલ્ડિંગ. આભાર. અભિવાદન હું અંતરિક્ષયાત્રી છું. મેં બે વાર પેસ શટલ પર ઉડાન ભરી અને હું આંતરરાષ્ટ્રીય પર રહેતા હતા સ્પેસ સ્ટેશન લગભગ છ મહિના માટે.